પ્રોત્સાહિત કરશે. બાળકોની જેમ અમને ડરતા તે બાબતોને સમજવાથી પુખ્ત વયના લોકો આપણા જીવનનો સામનો કરવામાં મદદ કરે છે. બાળપણના ડરને યાદ કરવાથી મારું બાળપણ સામાન્ય રીતે ખુશ હતું અને નચિંત પળો હતી. જો કે, અંધકાર તેના પડછાયાઓ, પડધાની અનપેક્ષિત હિલચાલ અને ક્રેકીંગ અવાજોથી મને ડરતો હતો. તેનાથી મને લાચાર લાગે છે અને હું ત્રાસદાયક હૃદયથી બોલતો રહેતો હતો. હું ખોવાઈ જવાથી ડરતો હતો. મારી સ્કૂલ બસમાં પહેલા, મેં તેને પરિચિત ચહેરાઓ માટે સ્કેન કર્યું. હું શરમાળ છું અને અન્ય લોકો દ્વારા પસંદ ન આવે તેવો ડર હતો. જેમ જેમ હું બાળકથી એક પુખ્ત વયે મોટો થયો છું, ત્યારે મને સમજાયું કે બાળકની જેમ આપણને ડરતી વસ્તુઓ સમજવાથી જીવનનો સામનો કરવામાં મદદ મળી. મશીનરીની યુગની પ્રગતિ એ બધી કમાણી થઈ નથી, હકીકતમાં મશીન દ્વારા જે આપણને આપ્યું છે તેની સામે એક મોટો ગેરલાભ સેટ કરવો જ જોઇએ કારીગરીમાં ઘટાડો. ફર્નિચર- નિર્માતા દ્વારા જતા દિવસોમાં કાળજી અને ગૌરવ સાથે ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે વર્ષોના સમયગાળા દરમિયાન, તેનો લગભગ એક ભાગ બની ગયો હતો, અને ખુરશી તેની આંખો સમક્ષ આકાર લેશે. તે ફક્ત તેના હાથનું જ નહીં પણ તેના દિમાગનું પણ કામ હતું, અને પોતાનું કંઈક વ્યક્ત કર્યું; કોઈ અન્ય ખુરશી, તે પણ તેના પોતાના હાથે બનાવેલી, તે જેવી જ નહીં હોત. તેથી તે બધા કારીગરો સાથે હતું; તેઓએ બનાવેલી દરેક વસ્તુ તેનું પોતાનું કાર્ય હતું, તેમના સાધનોના ઉપયોગમાં તેમની કુશળતાનું પરિણામ છે અને તેઓ માફીવાળા ગૌરવ સાથે તેના પર નજર કરી શકે છે. આજે સ્થિતિ શું છે? મશીન યુગના મોટા કારખાનાઓમાં, પુરુષોની હરોળમાં સંપૂર્ણ લેખ નહીં, પણ તે લેખનો માત્ર એક ભાગ બનાવવામાં ઉત્તેજીત રહે છે. વ્યક્તિગત કામદારને પણ એ લાગણીનો સંતોષ હોતો નથી કે આ ભાગ તેના પોતાના હાથનું કામ છે, કારણ કે તે એક જટિલ મશીન દ્વારા બનાવવામાં આવ્યું છે. તેણે જે કરવાનું છે તે કાચા માલને મશીનમાં ખવડાવવાનું છે, લિવર દબાવો અને ફિનિશ્ડ ભાગને મૂવિંગ બેલ્ટ પર મૂકવો છે, જે તેને એસેમ્બલી લાઇનમાં પહોંચાડશે. વ્યક્તિગત અને સામૂહિક અસ્તિત્વ વચ્ચે તણાવ છે. તકનીકી આપણને એકબીજા સાથે પહેલાંની જેમ કનેક્ટ કરે છે, અને આમ કરવાથી આપણે અન્ય લોકો દ્વારા નિર્ધારિત અને અપેક્ષિત એવી ડિગ્રી સ્પષ્ટ કરી શકીએ છીએ: જે રીતે આપણા વિચારો અને ઓળખ ફક્ત આપણી જ નથી, પરંતુ મોટા માનવનો ભાગ છે જડ અને પ્રવાહ. આ હંમેશાં સાચું રહ્યું છે પરંતુ ભાગ્યે જ તે વધુ સ્પષ્ટ અથવા વધુ અનુભવી રહ્યું છે. માનવ ઇતિહાસમાં પ્રથમ વખત, વિશ્વની મોટાભાગની વસ્તી માત્ર સાક્ષર જ નથી તે એક સદી કરતાં ઓછી જૂની સિદ્ધિ છે પણ લેખિત અને રેકોર્ડ સંસ્કૃતિમાં સક્રિયપણે ભાગ લેવા સક્ષમ છે, લગભગ દરેક દેશમાં જોડાયેલા ઉપકરણોના સૌજન્યથી. પૃથ્વી. આ એક આશ્ચર્યજનક, નિરાશાજનક, આનંદકારક વસ્તુ છે: વાદળની ભીડ, વહેંચાયેલ ચેતનાનો પ્રવાહ બની રહી છે. ગાંધીજીએ તેના પ્રથમ તબક્કામાં બારડોલીને તેમના અસહકારનું કેન્દ્ર બનાવવાની યોજના।